ઉત્તરાખંડ પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને યાત્રીઓને પહાડોથી બચવા માટે કહ્યું છે કારણ કે હવામાનની સ્થિતિને કારણે અનેક રસ્તાઓ અવરોધિત અથવા જોખમમાં છે. કુમાઉં વિસ્તારમાં સતત વરસાદ પડ્યા બાદ સોમવારે સવારે તનકપુર-પિથોરાગઢ રૂટની આસપાસના કેટલાક સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને અવરોધિત કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ એનએચ ઓલ વેધર રોડને સાફ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા એનએચ ઓલ વેધર રોડ પર રસ્તો સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. ભૂસ્ખલનના કારણે ગંગોત્રી હાઇવે પણ બે જગ્યાએ બંધ થયો છે, જેના કારણે કાંવડ યાત્રાના કેટલાક યાત્રાળુઓ અટવાઈ ગયા છે. બંદરકોટ ખાતે ભારે કાટમાળ પડવાને કારણે આજે રસ્તો ખુલવાની સંભાવના નથી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તરાખંડ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, ડુંગરાળ માર્ગો પર ભૂસ્ખલનનું જોખમ બની શકે છે. તેમણે ઇજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાની સૂચના પણ આપી છે. જાનહાનિ અત્યંત દુ:ખદ છે: રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલી જાનહાનિથી તેઓ દુ:ખી છે અને તમામ પક્ષના કાર્યકરોને રાહત પગલાંમાં મદદ કરવા વિનંતી કરી હતી.